તેઓ સતત આત્મસાક્ષાત્કાર માટે જ વિચારતા અને એમાં જ મગ્ન। રહેતા. તેમજ અન્યને પણ એ બાબતે યોગ્ય માર્ગદર્શન આપતા. તેઓ યુવાનોને મક્કમતાથી સાચી સમજ આપતા. સાઉથ આફ્રિકામાં રહેતા મોહનદાસ ગાંધીને તેઓ પત્ર વ્યવહારથી આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. મોહનદાસને જયારે પણ કોઈ મૂંઝવણ થતી ત્યારે તેઓ શ્રીમદ્ પાસેથી જ માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્ રાજચંદ્રએ એમને હિન્દુ ધર્મનો ગહન અભ્યાસ કરવાની પ્રેરણા આપી અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવા શીખવ્યું. ગાંધીજીને અહિંસાના પૂજારી બનાવવામાં શ્રીમદ્ રાજચંદ્રનું જ અમૂલ્ય યોગદાન છે. આમ, મોહનદાસ ગાંધીને સાચા અર્થમાં મહાત્મા બનાવનાર શ્રીમદ્ રાજચંદ્ર હતા! શ્રીમદ્ બાળકોને પણ અત્યંત સરળતાથી આધ્યાત્મિક સમજ આપી શકતા. એક વખત તેઓ થોડા બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એમણે બાળકોને પૂછ્યું કે તમે ઘી અને છાશ લઈને જતા હો ત્યારે જો કોઈ એક ચીજ ફેંકી દેવી પડે તો તમે શું ફેંકી દો અને શું બચાવી લો? ગિરધર નામના એક બાળકે ઉત્તર આપ્યો કે છાશ ફેંકી દઈને ઘી બચાવી લેવું જોઈએ કારણકે છાશ તો કોઈ તરત જ આપી દે પણ ઘી જલ્દી ન મળે. શ્રીમદ્એ બાળકોને સમજાવતાં કહ્યું કે આવી જ રીતે આત્મા અને શરીર અંગે વિચારવું જોઈએ. આત્મા એ ઘીની જેમ અતિ કિંમતી છે અને અવિનાશી છે. જયારે શરીર તો નાશવંત છે. આપણે નાશવંત શરીરને જ મહત્વ આપતાં રહીએ અને અવિનાશી આત્મા પ્રત્યે અજ્ઞાન રાખીએ તે બરાબર ન કહેવાય. મધર ટેરેસા મધર ટેરેસા નું બાળપણ મધર ટેરેસાના બાળપણનું નામ એગ્નેસ હતું. તેમનું જન્મ સ્થળ અને વતન ઓટોમન હતું. તેઓ ફક્ત આઠ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. એમના માતાએ એમનો ઉછેર કર્યો હતો. એગ્નેસ રોમન કેથલિક ચર્ચની વિચારસરણીમાં મોટા થયા હતા. એમણે બહુ નાની ઉંમરે જ પોતાનું સમગ્ર જીવન ઈશ્વર કાર્યોમાં જ સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. અઢાર વર્ષની ઉંમરે "સિસ્ટર્સ ઓફ લોરેટો" નામના જૂથમાં જોડાયા અને ભારત આવીને ધર્મપ્રચારક બન્યા. ભારત આવતાં પહેલાં તેમણે અંગ્રેજી શીખવું જરૂરી હતું. આથી તેઓ આયર્લેન્ડમાં એક વર્ષ રોકાઈને "લોરેટો એબે"માં અંગ્રેજી શીખ્યાં. મધર ટેરેસા અને બાળકો / યુવાનો સિસ્ટર ટેરેસા તરીકેના તેમની શરૂઆતના જીવનમાં તેઓ કલકત્તામાં શ્રીમંત પરિવારોની દીકરીઓ ભણતી તે સેન્ટ મેરી હાઈ સ્કૂલમાં ઇતિહાસ અને ભૂગોળ ભણાવતા. ધનિક વર્ગના બાળકોને ભણાવવાના એમના અનુભવને આધારે તેઓ ગરીબ બાળકોને ભણાવવા લાગ્યા. એમની પાસે ભણાવવા માટે કોઈ જ સાધનો નહોતા. તેઓ લાકડીથી કાદવમાં લખીને ભણાવવા લાગ્યા. અક્ષરજ્ઞાન આપવા ઉપરાંત તેઓ બાળકોને પ્રાથમિક સ્વચ્છતા અંગે પણ સમજાવતા.